તમે મગજ દ્વારા કેવી રીતે જોશો અસ્થિ દ્વારા જોયા વગર? " સારું, આ વાસ્તવિક માનવ ખોપરી છે. અમે તેને સ્કલસુનલીમીટેડ. કોમ પર ઓર્ડર આપ્યો છે. મજાક નહિ. પરંતુ અમે આ ખોપરીને ખૂબ આદર સાથે વર્તે છે અમારી લેબ પર અને અહીં ટેડ પર. અને તમે જોઈ શકો છો, લાલ પ્રકાશ તેમાંથી પસાર થાય છે. આપણા હાડકાંમાંથી પસાર થાય છે. તેથી આપણે ખોપરી ઉપર જઈ શકીએ અને હાડકાં અને માંસ ફક્ત લાલ પ્રકાશથી. ગામા કિરણો અને એક્સ-રે પણ, પરંતુ તેઓ ગાંઠનું કારણ બને છે લાલ પ્રકાશ આપણી ચારે બાજુ છે. તેથી, તેનો ઉપયોગ કરીને, હું જાઉં છું અહીં પાછા આવવા માટે અને તમને કંઈક વધુ ઉપયોગી બતાવશે મગજ દોરી બનાવવા કરતાં અમે કેટલું સારું છે તે જોવા જોવા માટે પોતાને પડકાર્યો આપણે મગજની પેશીઓ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આ મગજ દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવું, તે આટલું સરસ ધ્યાન કેન્દ્રિત કર્યું,અમે તેનીસામે એક ખુલ્લો કેમેરો ડાઇ મૂકી દીધો. અને એકદમ કેમેરો મૃત્યુ પામે છે. તમે સ્પોટલાઇટ બંધ કરી શકો છો? ઠીક છે, તે છે. તમે તે જુઓ છો? પ્રત્યેક પિક્સેલ બે-હજારમો છે એક મીલીમીટર પહોળું. બે માઇક્રોન. તેનો અર્થ તે છે કે સ્પોટ ફોકસ પૂર્ણ પહોળાઈ અડધા મહત્તમ છ થી આઠ માઇક્રોન છે. તેનો અર્થ શું છે તેનો ખ્યાલ આપવા માટે: તે સૌથી નાના ન્યુરોનનો વ્યાસ છે માનવ મગજમાં. તેથી તેનો અર્થ એ કે આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ ખોપરી અને મગજદ્વારા ચેતાકોષ સુધી. આ પહેલાં કોઈએ જોયું નથી, અમે અહીં પ્રથમ વખત આ કરી રહ્યા છીએ. તે અશક્ય નથી. અમે તેને અમારી સિસ્ટમ સાથે કાર્યરત બનાવ્યું,તેથી અમે એક પ્રગતિ કરી છે. ફક્ત એક વિચાર આપવા માટે જેમ કે, તે ફક્ત પચાસ આરસની વાત નથી. તે અબજો છે, ટ્રિલિયન ફોટોન, નિર્દેશ પ્રમાણે બધા લાઇનમાં પડવું હોલોગ્રામ દ્વારા, દ્વારા રિકોચેટ ગીચ વેરવિખેર મગજ, અને ધ્યાન કેન્દ્રિત તરીકે ઉભરી આવે છે. તે ખૂબ સરસ છે. અમે તેના વિશે ઉત્સાહિત છીએ. આ એક એમઆરઆઈ મશીન છે. તે થોડા મિલિયન ડોલર છે, તે એક ઓરડો ભરે છે, ઘણા લોકો કદાચ એક હતા. મેં એકમાં ઘણો સમય પસાર કર્યો છે. તેમાં લગભગ એક મીલીમીટરનું ધ્યાન છે ઠીંગણું અને મજબૂત પ્રકારની, સરખામણીમાં મેં હમણાં જ તમને બતાવ્યું અમારી તકનીકી પર આધારિત સિસ્ટમ નાટકીય રીતે ઓછી કિંમતને સક્ષમ કરી શકશે, ઉચ્ચ રીઝોલ્યુશન અને નાના તબીબી ઇમેજિંગ. તેથી અમે તે કરવાનું શરૂ કર્યું છે મેં અને મારી ટીમે એક કઠોર, લેબ રિગ બનાવી છે